અન્ય રોગો પણ છે કેન્સર, ડાયાબિટીઝ અને મેદસ્વીપણા જેવા જે અવાજના સંપર્કમાં જોડાયેલું છે, પરંતુ અમારી પાસે હજી પૂરતા પુરાવા નથી હકીકતમાં, નિષ્કર્ષ કા. ો કે આ રોગો અવાજ કારણે થાય છે. અવાજની બીજી એક મહત્વપૂર્ણ અસર ઊંઘની ખલેલ છે. ઊંઘ એ ખૂબ જ સક્રિય મિકેનિઝમ છે કે અમને પુન. પ્રાપ્ત અને અમને આગામી વેક અવધિ માટે તૈયાર કરે છે. શાંત શયનખંડ એ પાયાનો ભાગ છે ઊંઘ સંશોધનકારો શું કહે છે "સારી ઊંઘની સ્વચ્છતા. "અને અમારી શ્રાવ્ય પ્રણાલી ચોકીદારનું કાર્ય છે. તે સતત દેખરેખ રાખે છે ધમકીઓ માટે આપણું વાતાવરણ, અમે સૂઈ રહ્યાં છીએ ત્યારે પણ. તેથી બેડરૂમમાં અવાજ વિલંબનું કારણ બની શકે છે જે સમયે તે અમને સૂઈ જાય છે, તે રાત્રે આપણને જાગૃત કરી શકે છે, અને તે આપણા બ્લડ પ્રેશરને રોકી શકે છે રાત્રે નીચે જવાથી. આપણી પાસે એવી પૂર્વધારણા છે જો આ અવાજથી પ્રેરિત ઊંઘ ખલેલ પહોંચે મહિનાઓ અને વર્ષો સુધી ચાલુ રાખો, પછી રક્તવાહિની માટેનું જોખમ રોગ શક્યતા પરિણામ છે. જો કે, આપણે હંમેશાં જાણતા હોતા નથી આ અવાજથી પ્રેરિત ઊંઘની ખલેલ, કારણ કે આપણે બેભાન છીએ જ્યારે આપણે સૂઈ રહ્યા છીએ. ભૂતકાળમાં, અમે અભ્યાસ કર્યો છે ઊંઘ પર ટ્રાફિક અવાજની અસરો પર, અને સંશોધન વિષયો વારંવાર સવારે ઉઠીને કહે, આહ, મારી એક સરસ રાત હતી, હું તરત સૂઈ ગયો, ખરેખર ક્યારેય જાગ્યો નહીં. " જ્યારે આપણે પાછા જતા શારીરિક સંકેતો માટે અમે રાત દરમિયાન રેકોર્ડ કર્યું હતું, આપણે ઘણી વાર અસંખ્ય જાગૃતિ જોતા અને તીવ્ર ઊંઘવાળી ઊંઘ. આ જાગૃતિ ખૂબ ટૂંકી હતી વિષયો ચેતના મેળવવા માટે અને તેમને યાદ રાખવા બીજા દિવસે સવારે, પરંતુ તેઓ તેમ છતાં ઊંડી અસર પડે છે આપણી ઊંઘ કેટલી શાંત છે તેના પર. તેથી જ્યારે મોટેથી ખૂબ મોટેથી આવે છે? ખૂબ મોટેથી એક સારી નિશાની છે એકવાર તમે તમારી વર્તણૂક બદલવાનું શરૂ કરો. તમારે તમારો અવાજ ઉઠાવવો પડશે સમજી શકાય, અથવા તમે તમારા ટીવીનું પ્રમાણ વધારશો. તમે બહારના વિસ્તારોને ટાળી રહ્યા છો, અથવા તમે તમારી વિંડો બંધ કરી રહ્યાં છો. તમે તમારા બેડરૂમમાં ખસેડી રહ્યા છો ઘરના ભોંયરામાં, અથવા તમારી પાસે પણ છે અવાજ ઇન્સ્યુલેશન સ્થાપિત થયેલ છે. ઘણા લોકો દૂર જશે ઓછા અવાજવાળા વિસ્તારોમાં, પરંતુ દેખીતી રીતે જ બધાને નથી તે પરવડી શકે છે. તો હમણાં આપણે શું કરી શકીએ અમારા ધ્વનિ વાતાવરણમાં સુધારો કરવા માટે અને આપણા સ્વાસ્થ્યને વધુ સારી રીતે સુરક્ષિત કરવા માટે? સારું, સૌ પ્રથમ, જો કંઇક ખૂબ મોટેથી